અને તે અરજીનો સોદો કરશે. એટલે કે તેઓનો ક્યારેય કોર્ટમાં ખરાબ દિવસ નહિ આવે જેની આપણે ટેલિવિઝન શો અને મુવીઝમાં વાત કરીએ છીએ. અને આ અમેરિકામાં સામૂહિક અટકાયતની વાર્તાનો ના કહેવાયેલો ભાગ છે, કેવી રીતે અમે વિશ્વના સૌથી મોટા જેલર બન્યા. હાલમાં આ દેશમાં બે મિલિયન લોકો અટકાયતમાં છે અને અંદાજો કહે છે ત્રણમાંથી એક કાળો માણસ જેલના સળિયા અંદરથી જોશે આ માર્ગ પર તેમના જીવનના અમુક સમયે. પણ અમારી પાસે એક ઉપાય છે. અમે આ વિચાર પ્રત્યે અગમ્ય બનવાનું નક્કી કર્યું છે. ખાલી વકીલો જ કોર્ટને અસર કરી શકે છે. અમે આ અભિગમને "સહભાગી સંરક્ષણ" કહિએ છીએ. તે કમ્યુનિટી અને પરિવારો માટે એક પદ્ધતિ છે. તેમના પ્રિયજનો દંડનો સામનો કરી રહ્યા છે અને તેઓ કેસોના પરિણામ ઉપર કેવી અસર કરી શકે છે અને અદાલતમાં શક્તિના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવું તે કેવી રીતે કાર્ય કરે છે. એવા પરિવારો કે તેમના પ્રિયજનો ક્રિમીનલ આરોપોનો સામનો કરી રહ્યા છે સપ્તાહિક મિટિંગમાં આવશે, અને તે અડધા સપોર્ટેડ ગ્રુપ છે, અડધા વ્યૂહાત્મક આયોજન સત્ર અને તેઓ કમ્યુનિટી ઊભી કરશે સિવાય કે જે એકલતાનો અને એકાકી નો અનુભવ કરશે અને તેઓ સર્કલમાં બેસશે. અને બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખો કે જેઓ તેમને ટેકો આપવા માટે ત્યાં છે. તેઓ અસંગતતાઓ શોધવા માટે પોલીસે અહેવાલોની સમીક્ષા કરશે, તેઓને આવશ્યક એવા ક્ષેત્રો મળશે, સંરક્ષણ એટર્ની દ્વારા વધુ તપાસ અને તેઓ એકબીજા સાથે કોર્ટમાં જશે. ભાવનાત્મક આધાર માટે પરંતુ તે પણ જેથી ન્યાયાધીશ જાણે કે વ્યક્તિ તેમની સામે પહેલાથી ઉભી છે મોટી કમ્યુનિટીનો એક ભાગ છે જે તેમની સુખાકારી અને સફળતામાં રોકવામાં આવે છે અને આ પરિણામો નોંધપાત્ર રહ્યા છે. અમે જોયું છે કે ચાર્જ રદ કરવામાં આવે છે. વાક્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નિર્દોષ મુકદ્દમો જીતી ગયા અને કેટલીક વાર તે સાચુકલીમા જીવન બચાવે છે જેમકે રેમન વાસ્કિઝના કિસ્સામાં. બે જણનો પિતા, કુટુંબી માણસ, અને ટ્રકનો ડ્રાઈવર અનેકો કે તેમની ઉપર ખોટી રીતે ચાર્જીસ લગાવ્યા ગેંગ સંબંધિત હત્યા મા. તે ખરેખર નિર્દોષ હતા પરંતુ આજીવન કેદનો સામનો કરી રહ્યા હતા. રેમનની ફેમિલી તે મિટિંગમાં આવી હતી. તેની ધરપકડ અને અટકાયત પછી તરત જ અને તેઓએ મોડલનું કામ કર્યું અને તેમની મહેનત દ્વારા તેમને આ કેસમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો. અને અમે શોધ કરતાઓ દ્વારા ખતરનાક ધારણાઓને ઠીક કરવામાં સક્ષમ છીએ.